અને અલબત્ત, આનો અર્થ એ હતો કે તેના માથાના પરિમાણો સંપૂર્ણપણે તે સૌથી નીચા મોટરવે પુલ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંથી તેને પોતાની યાત્રા દરમિયાન પસાર થવું પડવાનું હતું. અને મારે તમને કહેવું છે કે હેમ્બર્ગની બહાર ખરેખર એક અત્યંત નીચો અને મુશ્કેલ પુલ છે. અમે જે સૌથી વધુ તકનીકી રીતે જટિલ કૃતિઓ પર કામ કર્યું છે, તેમાંની એક ઓપેરા “કાર્મેન” હતી, જે બ્રેગેન્ઝ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી. અમે કાર્મેનના હાથને કોન્સ્ટન્સ સરોવર પરથી ઊંચા થતા કલ્પ્યા હતા. તે તૂતક પર પત્તા ફેંકતી હતી અને તેમને આકાશ અને સમુદ્રની વચ્ચે સ્થિર રાખતી હતી. પરંતુ કાંડા વડે કરવામાં આવતો આ ક્ષણિક હાવભાવ, આ નાનકડી ઝલક, એવી રચનામાં ફેરવાયો હતો જે બે શિયાળાની ઋતુઓ સુધી ટકી શકે તેટલી મજબૂત હોવી જરૂરી હતી. તેથી, આ ફોટોગ્રાફમાં તમે જે જોઈ રહ્યા છો તેની પાછળ ખરેખર ઘણું કામ છુપાયેલું છે. તેમાં ઘણું બધું આધારભૂત માળખું, સપોર્ટ અને પાછળથી આપવામાં આવેલો ટેકો છે. અને હું તમને એવા ફોટોગ્રાફ્સ બતાવવા જઈ રહી છું જે મારી વેબસાઇટ પર નથી. તે સેટની પાછળના ભાગના ફોટોગ્રાફ્સ છે, એટલે કે તે ભાગ જે પ્રેક્ષકોને દેખાતો નથી, પરંતુ જેના પર ઘણું કામ કરવામાં આવે છે. અને તમે જાણો છો, એક સ્ટેજ ડિઝાઇનર તરીકે કામ કરતા કલાકાર માટે આ ખરેખર એક વિચિત્ર પરિસ્થિતિ છે, કારણ કે હું જે બનાવું છું તે નકલી છે, એક ભ્રમણા છે. તેમ છતાં, દરેક કલાકાર એવી કોઈ વસ્તુની નકલ કરવાનો પ્રયાસ કરે છે જે તેને સાચી લાગે છે. પરંતુ આપણે હંમેશાં પોતાને પૂછીએ છીએ: “શું આપણે ખોટી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સત્ય સાથે વાતચીત કરી શકીએ?” અને હવે જ્યારે હું મારા કામ કરેલા શોને પ્રેક્ષકોમાં બેસીને જોઉં છું, ત્યારે ઘણી વાર મને લાગે છે કે હું એકમાત્ર એવી વ્યક્તિ છું જે મંચને જોઈ રહી નથી. હું કંઈક એવું જોઈ રહી છું જે મને એટલું જ રસપ્રદ લાગે છે, અને તે છે પ્રેક્ષકો. મારો મતલબ, તમે આના સાક્ષી ક્યાં બની શકો? આટલા બધા લોકો એકસાથે જોડાયેલા, એકાગ્ર, અવિરત અને અપ્રગટ. અને અંતે, મેં અહીંથી પ્રેરણા લઈને કામ કરવાનું શરૂ કર્યું છે, પ્રેક્ષકોના સામૂહિક અવાજમાંથી. “કવિતાનાં ચિત્રો” એક સામૂહિક કવિતા છે. તેની શરૂઆત લંડનની સર્પેન્ટાઇન ગેલેરીમાં થઈ હતી, જ્યાં દરેક વ્યક્તિને સામૂહિક કવિતા માટે એક શબ્દનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને મોટા એલઇડી પોટ્રેટને સ્ટેડિયમની પાછળ પ્રસારિત કરવાને બદલે, આ કિસ્સામાં, પ્રેક્ષકોનો દરેક સભ્ય પોતાનું પોટ્રેટ પોતાની સાથે ઘરે લઈ જાય છે, અને તે પોટ્રેટમાં તેઓએ સામૂહિક કવિતા માટે આપેલા શબ્દોને વણી લેવામાં આવે છે. તેથી તેઓ તેનો એક ભાગ...